તેથી આંકડાકીય ટૂર્નામેન્ટ આ ડેટાની આ મોટી વસ્તુ પૂછવા જેવું છે, તેથી દરેક વસ્તુમાંથી ડેટા તમે આ સમયે ગ્રાહકો વિશે જાણો છો, સૌથી વધુ શું છે ઉપયોગી વસ્તુ મારે જાણવાની જરૂર છે, તે મને વધુ કહે છે. ગ્રાહકોને શું જોઈએ છે તે વિશે? તેથી ટૂર્નામેન્ટ ચાલે છે વિજેતાઓ અને હારી છે. વિજેતાઓ તે ચલો છે, તે પરિમાણો, તે ખરેખર તમને ઘણું શીખવે છે તમારા ગ્રાહક વિશે, કે જો તમે તે જાણો છો. તમે જાણો છો કે તેઓને શું જોઈએ છે અને ત્યાં ચલો ખોવાઈ ગઈ છે તે માત્ર તે વ્યવહારુ નથી અને આ કારણ છે મર્યાદિત સંસાધનોની દુનિયામાં, તમે લોકો પર તેનો વ્યર્થ કરવા માંગતા નથી ,જે ખરેખર સમાન જરૂરિયાતો ધરાવે છે ,તો શા માટે તેમની સાથે અલગ વર્તન કરો? એક લાખ ટુર્નામેન્ટ્સમાંથી, લિંગ જ બહાર આવ્યું. વિજેતા ચલ તરીકે તેમાંના લગભગ પાંચ ટકામાં આ માર્ગ દ્વારા, વિશ્વભરમાં સાચું છે. અમે આ સ્થળોએ કર્યું જ્યાં પરંપરાગત લિંગ ભૂમિકા થોડી વધુ ઉચ્ચારણ છે અને નિષ્કર્ષ બરાબર એ જ હતા. તે થોડું વધારે મહત્વનું હતું. લિંગ પાંચ ટકા કરતા, પરંતુ સામગ્રી નથી. તો ચાલો તે એક સેકંડ માટે ડૂબી દો. પછી ભલે તમે કેવી રીતે શોધી રહ્યાં છો ગ્રાહક પર, મોટા ભાગે બીજું કાંઈ રહ્યું છે .જાતિ કરતાં તમારા માટે વધુ રસપ્રદ રહેવું. ત્યાં કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે તેમના વિશે જાણવાની જરૂર છે અને તમે વિચલિત થઈ રહ્યાં છો, કારણ કે તમે લિંગ પર આધારીત બધું કરી રહ્યા છો અને તેથી જ હું કહું છું કે તમે જતા રહ્યા છો ટેબલ પર પૈસા. લિંગ સરળ છે. તે ડિઝાઇન કરવા માટે સરળ છે, જાતિ પર આધારીત જાહેરાત, લોકોને નિશાન બનાવવું સરળ છે અને લિંગ પર આધારિત ટીવી પર,પરંતુ અંતે તે ક્યાં નથી ઉત્તેજક વૃદ્ધિ આવશે. જો તમે કોઈ ફૂડ કંપની છો, ઉદાહરણ તરીકે, તે ખરેખર તમારા માટે વધુ રસપ્રદ છે લોકો ક્યાં ખાય છે તે જાણવા માટે, તેઓ કોની સાથે ખાય છે, શું તેઓ ખૂબ પોષણયુક્ત છે? તે બધી વસ્તુઓ ખરેખર છે નોંધપાત્ર રીતે વધુ શક્તિશાળી અને ઉપયોગી જાણવું કરતાં જો કોઈ વ્યક્તિ એક પુરુષ અથવા સ્ત્રી છે અને તે બાબતો અલબત્ત, કારણ કે પછી જો તમે મૂકી રહ્યાં છો તમારું મર્યાદિત બજેટ ક્રિયામાં, તો પછી તમે બનાવવાનું બંધ કરો .વિવિધ પ્રસંગો માટે ઉકેલો મહિલાઓને લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કરતાં યુવાનો વિરુદ્ધ. બીજું ઉદાહરણ આલ્કોહોલિક પીણાં છે.